નેમ પ્લેટનોનવીન વાદળી રંગ મુલાકાતીઓને આશ્ચર્યચકિત કરી શકે છે અને મોટી હાજરી ઉભી કરી શકે છે. વધુ અગ્રણી અને સુંદર દેખાવા માટે તમારે સફેદ રંગથી નામ કોતરવું જોઈએ. નેમપ્લેટ તરીકે ભવ્ય વાદળી રંગના ગ્રેનાઈટનો ઉપયોગ કરો નેમપ્લેટ્સ માટે જોવાલાયક લીલો ગ્રેનાઈટ કદાચ તમે ઘણા રસોડામાં લીલો ગ્રેનાઈટ જોયો હશે. હાલના સમયમાં ગ્રેનાઈટનો ઉપયોગ નેમ પ્લેટ બનાવવામાં પણ થઈ રહ્યો છે. જ્યારે પણ તમે ગ્રેનાઈટ કાપો ત્યારે ખાતરી કરો કે તમે મોટી સાઈઝ કાપો જેથી તે પ્રવેશદ્વારની સુંદરતામાં પણ વધારો કરી શકે. અદભૂત લીલા રંગમાં ગ્રેનાઈટ નેમપ્લેટ સમાન સેફાયર બ્રાઉન ગ્રેનાઈટ નેમ પ્લેટ જેમ કે અમે તે પહેલાં વચન આપ્યું હતું કે અમે તમને નેમ પ્લેટ માટે રંગોનો એક સેટ લાવીશું જે તમે પહેલાં ક્યારેય વિચાર્યું નથી. સમાન નીલમ બ્રાઉન રંગની નેમ પ્લેટ નામને શાહી અનુભૂતિ આપે છે. તમે પ્રકારના રંગોને નેમપ્લેટ તરીકે ઘણી વાર જોશો. તમારી નેમપ્લેટ પર સેફાયર બ્રાઉન ગ્રેનાઈટ ટેક્સચર આપો નવા વેનેટીયન ગોલ્ડ ગ્રેનાઈટનો ઉપયોગ જો તમે તમારી નેમ પ્લેટ પર રેતી જેવું ટેક્સચર મેળવવા માંગો છો તો તમારા માટે બેસ્ટ ફિટ વિકલ્પ છે. ગોલ્ડ ગ્રેનાઈટ આંખો માટે ખૂબ શાંત લાગે છે અને તેનો ઉપયોગ સફેદ જેવા બેકગ્રાઉન્ડ વોલ કલર્સ સાથે કરી શકાય છે. તે અને બંને નેમ પ્લેટ તરીકે સરસ દેખાશે. નવા વેનેટીયન ગોલ્ડ ગ્રેનાઈટ સાથે તમારી નેમપ્લેટને શાંત દેખાવ આપો ગોલ્ડન અને બ્લુ ગ્રેનાઈટનું અદભૂત સંયોજન અમારો ઉદ્દેશ્ય ગ્રેનાઈટના સૌથી અલગ અલગ રંગોને સૂચિબદ્ધ કરવાનો છે જેનો ઉપયોગ ઘર માટે ગ્રેનાઈટ નેમ પ્લેટ ડિઝાઇન માટે કરી શકાય છે. ગોલ્ડન અને બ્લુના સંયુક્ત રંગો ગ્રેનાઈટને સૌથી વધુ ગતિશીલ બનાવે છે. જો તમે તેના માટે જશો તો તે સૌથી નવીન નેમ પ્લેટ હશે. નેમપ્લેટમાં નવીન સોનું અને વાદળી ગ્રેનાઈટ પ્રખ્યાત ઉબા ટુબા ગ્રેનાઈટનો ઉપયોગ તે એક વિશિષ્ટ ગ્રેનાઈટ છે જે આપણે બધાએ ઘણી જગ્યાએ જોયેલી છે. અમે આનો ઉપયોગ અમારી નેમ પ્લેટ તરીકે કરવાનું ક્યારેય વિચાર્યું નહોતું પરંતુ તે કંઈક અનોખું અને આકર્ષક હોઈ શકે છે. રાખ અને થોડો નારંગી રંગ ગ્રેનાઈટને અદભૂત બનાવે છે. અનન્ય ઉબા ટુબા ગ્રેનાઈટ નેમપ્લેટ્સ ગ્રે ગ્રેનાઈટ સાથે નેમ પ્લેટ ગ્રે ગ્રેનાઈટ ઘણા વર્ષોથી નેમપ્લેટ તરીકે આપણી આસપાસ છે. આપણે તેને સરળતાથી વિન્ટેજ પ્રકારની નેમપ્લેટ કહી શકીએ. તમે તમારી નેમપ્લેટની કિનારીઓ માટે ગ્રે ગ્રેનાઈટનો ઉપયોગ કરી શકો છો, જે સારી લાગી શકે છે. ગ્રે ગ્રેનાઈટ સાથે વિન્ટેજ-સ્ટાઈલવાળી નેમપ્લેટ નેમ પ્લેટમાં કુદરતી સ્કાય-બ્લુ ટેક્સચર સૌથી વધુ આંખને સુખ આપનારો રંગ આકાશી વાદળી છે જેનો તમે તમારા નેમપ્લેટના રંગ તરીકે ઉપયોગ કરી શકો